જાણો આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું હતું કે પેનિક થવાની જરૂર નથી. રૂપિયાની નોટ કાયદેસરની મુદ્રા રહેશે. લોકો પાસે પોતાની પાસે રહેલી રૂપિયાની નોટોને બેંકોમાં જમા કરાવવા માટે અથવા બદલવા માટે પર્યાપ્ત સમય છે. – શક્તિકાંત દાસે કહ્યું કે નોટો બદલવા માટે ઓછા મૂલ્યની નોટો પર્યાપ્ત સંખ્યામાં છે. એસબીઆઈએ પોતાની દરેક બ્રાંચોને નિર્દેશ આપ્યો છે કે રૂપિયાની નોટો બદલવા માટે ગ્રાહકોને કોઈપણ ફોર્મ અથવા આઇડીની જરૂરત નથી. – રૂપિયાની નોટો બદલવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. આવી નોટોને પોતાના ખાતામાં જમા કરાવવા માટે રિઝર્વ બેન્કે કોઈ સીમા નક્કી કરી નથી. – એ કહ્યું હતું કે રૂપિયાની નોટોનો ડેટા રાખવા માટે બેંકે ડિપોઝિટ અને એક્સચેન્જ પર એક ફોર્મ ભરવાની જરૂરત રહેશે. આ ફોર્મમાં બેંકનું નામ તારીખ, નોટ એક્સચેન્જની રકમ અને કુલ રાશિ રહેશે. – ગર્મીને જોતા આરબીઆઈએ બેંકોને સલાહ આપી હતી કે નોટ જમા અથવા બદલવા આવેલા લોકો માટે શેડની વ્યવસ્થા કરે. સાથે જ લાઇનમાં ઉભેલા લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવે. – રૂપિયાની નોટો પરત લેવા માટે વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે આવું કરતા પહેલા તેના પ્રભાવ અને પરિણામનું સંપૂર્ણ અધ્યયન કરવું જરૂરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય સાત વર્ષ પછી બદલી રહી છે. આવું થૂંકીને ચાટવા જેવું છે. – વિપક્ષનો આરોપો પર પલટવાર કરતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે લોકોએ ગેરકાયદે રીતે રૂપિયાની નોટો જમા કરી દીધી છે.